અકલ્પ્ય મિલન: "હેપ્પી ફાધર્સ ડે" હાથમાં મઘમઘતાં ફૂલોના બુકે સાથે હોસ્પિટલના રૂમમાં પ્રવેશતા ડોક્ટરે દર્દીને ફાધર્સ ડેની શુભેચ્છા પાઠવી. પણ આ શું? દર્દી તરફથી કોઈ પ્રતિભાવ જ નહીં! દર્દી અનિમેષ નયન તો બારીની બહાર તાકી રહ્યા હતા. સાહજિક રીતે ડોક્ટરનું ધ્યાન પણ ત્યાં દોરાયું. બહાર એક યુવતી પોતાની પાંચેક વર્ષની પુત્રી સાથે રમતી હતી. માતા-પુત્રી બંનેના ચહેરા ફૂલની જેમ ખીલી રહ્યા હતા. આમતેમ દોડતી પુત્રી, જાણે પતંગિયું ને તેને પકડવા દોડતી માતા જાણે નાનું બાળક! આમ જોવા જાવ તો આ દ્રશ્ય જોનારને પણ પ્રફુલ્લિત કરી દેનારું હતું. પણ ડોક્ટરે જોયું કે દર્દીની આંખોમાંથી તો શ્રાવણ-ભાદરવો વહી રહ્યો હતો. તેમનું માત્ર શરીર જ અહી હતું, મન તો ન જાણે ક્યાં હતું? ડૉક્ટર પણ પોતાનું કાર્ય ભૂલીને દ્રશ્ય સાથે એકરૂપ થઈ ગયા! અચાનક નાનકીની પાછળ દોડતી યુવતીએ બેલેન્સ ગુમાવતાં તે જમીન પર પટકાઈ. તે સાથે જ દર્દીએ ચીસ પાડી, "સંભાળીને રુચિ." માતા સુધી તો આ શબ્દો પહોંચે એમ હતા નહિ, ને તે તો ઊભી થઈને ફરીથી પુત્રી સાથે ક્રીડા પણ કરવા લાગી. પરતું અહી રૂમમાં આ નાનકડી ઘટનાની ઘેરી અસર વર્તાઈ રહી હતી. દર્દીની વરસતી આંખો અને અજાણી યુવતીને 'રુચિ'નું સંબોધન ડૉક્ટરને આશ્ચર્યકારક લાગ્યાં. અતિ ગંભીર સ્થિતિમાં પોતાની હોસ્પિટલમાં આવેલ દર્દી નવજીવન પામીને આજે ઘરે જવાનો હોય ત્યારે ખુશીને બદલે આંસુ જોઈને કોઈપણ વ્યક્તિને અચરજ થાય જ. ડૉક્ટર દ્વારા મોટેથી થયેલા 'કાકા'ના સંબોધને દર્દીને પાછો રૂમમાં લાવી મૂક્યો. પોતાના જીવનદાતાને સામે ઊભેલા જોઈને સહજ જ એમના હાથ જોડાઈ ગયા. પોતે અહી આવ્યા ત્યારે મરણાસન્ન સ્થિતિમાં હતા. પેટમાં સામાન્ય દુ:ખાવાની ફરિયાદ સાથે ગામેગામના ડૉક્ટર પાસેથી દવા લેવા છતાં દર્દમાં રાહત ન થતાં, શહેરની મોટી હોસ્પિટલની મુલાકાત લીધી. જાત-જાતના રીપોર્ટ અને થોડી દવાઓના પ્રયોગો પછી સ્થિતિ વણસતાં મોટા ડોક્ટરે મુંબઈ જવાની સલાહ આપી. મુંબઈની તબીબી આલમમાં યુવા ડૉક્ટર નૈમિષ પટેલનું મોટું નામ. અને નામ જેવી જ વિશાળ અને અદ્યતન હોસ્પિટલ! આવડતની સાથે જશની રેખા પણ ખરી જ! એમની પાસે આવેલો દર્દી એમને મળીને જ અડધો સાજો થઈ જાય એવો સરળ અને લાગણીશીલ સ્વભાવ. બિમારનું નિદાન કરવાની સૂઝ ગજબની ને એટલી જ અસરકારક સારવાર! "રડતો આવેલો દર્દી હસતો પાછો જવો જોઈએ" એ એમનું સૂત્ર. આવા ઉંમરમાં નાના પણ ગજામાં મોટા એવા ડૉ. નૈમિષ પટેલને ખુશીના સમયે રડતા દર્દીની પીડા જાણવી જરૂરી લાગી. એમાંય દર્દીના હોઠે 'રુચિ'નું નામ આવ્યું! પછી તો ડૉક્ટરથી રહેવાય જ કેમ? ડોક્ટરે સાથે આવેલી નર્સને દરેક દર્દી સુધી ફૂલો સાથે શુભેચ્છા પહોંચાડવાની સૂચના આપીને